અને સહાયક હતા. સૂર્યના પ્રકાશની અંદર પણ, ઇજા પહોંચાવાની શક્તિ સાથે ટૂંકા તરંગ કિરણોત્સર્ગ હતા. સમય આપ્યો, જીવન સમાયોજિત થયું છે અને સંતુલન પહોંચી ગયું છે. સમય માટે આવશ્યક ઘટક છે, પરંતુ આધુનિક વિશ્વમાં સમય નથી. પરિવર્તનની તીવ્રતા અને ગતિ જેની સાથે નવી પરિસ્થિતિઓ સર્જાય છે તે પ્રકૃતિની ઇરાદાપૂર્વકની ગતિને બદલે માણસની બેદરકારીની ગતિને અનુસરે છે. રેડિયેશન એ હવે કોસ્મિક કિરણોનું બોમ્બાર્ડમેન્ટ નથી. તે હવે અણુ સાથે માણસની ચેડા કરવાની અકુદરતી રચના છે. જીવનને સમાયોજીત કરવા માટે કહેવામાં આવતા રસાયણો હવે ફક્ત કેલ્શિયમ, સિલિકા અને તાંબુ જ નથી અને બાકીના બધા ખનિજો ખડકોમાંથી ધોવાઇ જાય છે અને નદીઓમાં દરિયામાં વહન કરે છે. તે માણસના સંશોધનાત્મક મનની કૃત્રિમ રચનાઓ છે, તેની પ્રયોગશાળાઓમાં ઉકાળવામાં આવે છે, અને પ્રકૃતિનો કોઈ સાથી નથી. હવા, પૃથ્વી, નદીઓ અને સમુદ્રમાં ઘાતક પદાર્થો, પર્યાવરણને દૂષિત કરે છે, જે પ્રદૂષણની બદલી ન શકાય તેવી દુષ્ટ સાંકળની શરૂઆત કરે છે. રસાયણો અને કિરણોત્સર્ગ પર્યાવરણને દૂષિત કરવા માટે પાયમાલી બનાવે છે. તેઓ વિવિધ માધ્યમો દ્વારા માનવ હાડકાં સુધી પહોંચે છે. લાખો વર્ષોમાં જીવન આસપાસના સાથે ગોઠવણ અને સંતુલનના તબક્કે પહોંચ્યું. દુર્ભાગ્યે, આધુનિક વિશ્વમાં વધુ સમય નથી. કોસ્મિક કિરણોનું બોમ્બાર્ડિંગ હવે કિરણોત્સર્ગનું કારણ નથી, તે માણસની અકુદરતી રચના છે. ઝાકઝમાળ એસિડ્સ, એસિડ વરસાદની જેમ પડીને પાક અને ઝાડને નુકસાન પહોંચાડવાની સંભાવના છે. પાંદડા પર પડતી એશ પૃથ્વીની સપાટી પર સૂર્યપ્રકાશના ઘટાડાની અસરને વધારી શકે છે. ધુમ્મસનું નિર્માણ થઈ રહ્યું છે તે પ્રદૂષણ, શ્વસન રોગોના ઉચ્ચ સ્તરના પરિણામે હજારો હજારો અકાળે મૃત્યુ તરફ દોરી જાય છે. ધુમ્મસને લીધે ભારતમાં સૂર્યપ્રકાશને ટેન ટકાનો ઘટાડો થયો છે એક મોટી રકમ! પ્રતિક્રિયા તરીકે, ભારતનો ઉત્તર પશ્ચિમ સુકાઈ રહ્યો છે. પ્રો. વી. રામાનાથને ખાસ કરીને જ્યારે ભારતમાં ઝાકળની અસર વિશે પૂછવામાં આવ્યું ત્યારે જણાવ્યું હતું. દર વર્ષે સૂર્યપ્રકાશ ઓછો થતો હોવાનું જણાવીને તેમણે જણાવ્યું હતું. અમે હજી પણ ઝાકળની અસરની સમજના પ્રારંભિક તબક્કામાં છીએ. એક દાયકાથી વધુ સારા ચોમાસાને લીધે ભારતના મોટાભાગના ભાગોમાં હાલનો દુકાળ પડ્યો હોવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે કોઈ તારણ પર પહોંચવું બહુ વહેલું થયું હતું. જો દુષ્કાળ લગભગ ચારથી પાંચ વર્ષ સુધી યથાવત રહે છે, તો આપણે એવી શંકા શરૂ કરવી જોઈએ કે તે તરસને કારણે હશે. ભારત, ચીન અને ઇન્ડોનેશિયા તેમની વસ્તીની ઘનતા, આર્થિક વિકાસ અને વનસ્પતિના ઘટાડાને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત છે. પ્રારંભિક પરિણામો સૂચવે છે કે, ઝાકળની રચના, રાખ, એસિડ્સ, એરોસોલ્સ અને અન્ય કણોનો હવામાન સિસ્ટમોમાં વિક્ષેપ પડે છે, જેમાં વરસાદ અને પવનની રીત અને એશિયન ખંડના પશ્ચિમ ભાગોમાં દુષ્કાળ સર્જાય છે.